હેડબોર્ડ અથવા ફ્રેમમાં પણ કેટલાક ફૂલો ઉમેરો. સૌંદર્યલક્ષી રીતે વિવિધ પ્રકારનાં દીવા મૂકો. કેટલાક ફૂલોની રંગોળીની અંદર, કેટલાક મૂર્તિની નજીકથી દીવા તરીકે, અને કદાચ બાજુઓ પાસે લટકતા દીવાઓ.ને શેષા બેકડ્રોપ સાથે ગણપતિ ફ્લાવર ડેકોરેશન. બંગલા અથવા સોસાયટીમાં મોટી ઉજવણી માટે ગણપતિના ફૂલની સજાવટ. જો તમે કોવિડના બે વર્ષના વિરામ પછી વર્ષે તમારા ગણપતિની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે તૈયાર છો, તો આગળ વધો અને કંઈક અદ્ભુત બનાવો. ઉપરની છબીમાંથી પ્રેરણા લો અને શેષાના આકારમાં ગણપતિના ફૂલની સજાવટ બનાવો. બધા સપનારા જા જેના પર ભગવાન મુકી વિષ્ણુ ઘણીવાર આરામ કરતા જોવા મળે છે. પૌરાણિક કથાઓ અનુસાર, શેષ તમારા ગ્રહોને તેના વિવિધ હૂડ પર વહન કરે છે અને તેના બધા મુખમાંથી વિષ્ણુની સ્તુતિ ગાવા માટે જાણીતા છે. આખી ફ્રેમ મેરીગોલ્ડ ફૂલોનો ઉપયોગ કરીને બનાવી શકાય છે જે માત્ર પ્રતીકાત્મક નથી પણ ખૂબસૂરત પણ છે. ઓર્કિડ, કાર્નેશન અને ગુલાબ ગણપતિ ફ્લાવર ડેકોરેશન. એક સુંદર ગણપતિ ફૂલોની સજાવટ, ઘરના નાના મંદિર માટે યોગ્ય. ગુલાબ, ઓર્કિડ અને કાર્નેશનનો ઉપયોગ કરતી ગણપતિ ફૂલોની સજાવટની ડિઝાઇન સાથે આકર્ષક મંદિર બનાવો. દરેક ફૂલમાં ચોક્કસ પ્રતીક હોય છે જે વિચારની સુંદરતામાં વધારો કરે છે. ઓર્કિડ સુંદરતા, વશીકરણ અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. ગુલાબ હિંમત અને શુદ્ધતાનું પ્રતીક છે, અને કાર્નેશન્સ મીઠાશ અને સારા નસીબ માટે ઊભા છે. તેમને કેટલાક પાંદડા અને સાપના છોડ સાથે એકસાથે મૂકો, અને તમે ઉપરની છબીની જેમ ડિઝાઇન બનાવી શકો છો. તમારા નાના મંદિરની ફ્રેમને સજાવવા માટે ફક્ત ફૂલોનો ઉપયોગ કરો, અને તે થઈ ગયું. પીળા અને લીલા ગણપતિ ફૂલોની સજાવટ. ગ્રીન અને યલો થીમમાં ઘરે ગણપતિ માટે ફ્લાવર ડેકોરેશન. ઘર માટે પીળા અને લીલા ગણપતિના ફૂલની સજાવટ માત્ર ખૂબસૂરત નથી પરંતુ રંગનું પણ મહત્વ છે. વિવિધ સંસ્કૃતિઓમાં, લીલો રંગ પૈસા આકર્ષવા માટે જાણીતો છે, અને મહત્વાકાંક્ષા અને પીળો રંગ સુખ, આશાવાદ અને જ્ઞાન સાથે સંકળાયેલ છે. લીલા પૃષ્ઠભૂમિનો ઉપયોગ કરો અને ઉપરની છબીમાંથી ગુલાબ જેવા ફૂલોની તમારી પસંદગી સાથે એક ગોળ ફ્રેમ ઉમેરો અને વર્તુળની અંદર, તેજસ્વી પીળા મેરીગોલ્ડના અસંખ્ય તાર હોય. લીલો અને પીળો એક સુંદર કોન્ટ્રાસ્ટ ધરાવે છે અને ગણેશ મૂર્તિને અલગ બનાવે છે. ઘરે ગણપતિ માટે પેપર ફ્લાવર ડેકોરેશન. સાદા ચાર્ટ પેપર વડે બનાવેલ ગણપતિ ફૂલ ડેકોરેશન. જો તમને પ્રોજેક્ટ્સ ગમે છે, તો ગણપતિ ફૂલોની સજાવટનો વિચાર ફક્ત તમારા માટે છે. ચાર્ટ પેપર અને પેઇન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, સૌથી સરળ સુશોભન વિચાર છે. તમારા બાળકોને પ્રોજેક્ટમાં સામેલ કરો અને તમારા જ્યારે તમે સરળ કાગળના ફૂલો બનાવવામાં સાથે સમય પસાર કરો ત્યારે તેમને તહેવાર વિશે શીખવો.